ટ્રીબ્યુનલના ચેરપર્સન આદર્શકુમાર ગોયલે જણાવ્યું છે કે, દેશના જે શહેરના હવાની ગુણવત્તા ખરાબ શ્રેણીમાં આવતી હોય તે શહેરોમાં પણ આ પ્રતિબંધ લાગુ પડશે. બિહારમાં મતગણતરીની કામગીરી પારદર્શક રીતે તથા શાંતિપૂર્ણ રીતે થઈ શકે તે હેતુથી રાજ્ય પોલીસ ઉપરાંત અર્ધલશ્કરી દળોના જવાનો ગોઠવવામાં આવ્યા છે. કોવિડ-નાઈનટીન ની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને દરેક હોલમાં મર્યાદિત ટેબલ રાખવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દિપાવલીનો તહેવાર સ્થાનિક ચીજવસ્તુઓ સાથે ઉજવવા આહવાન કર્યું છે. પ્રધાનમંત્રીએ વારાણસીમાં વીડિયો માધ્યમથી વિવિધ વિકાસકામોનું ગઈકાલે લોકાર્પણ ખાતમૂહુર્ત કર્યું હતું, અને લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો. મુંબઈ વડી અદાલતે અર્નબ ગોસ્વામીના વચગાળાના જામીન અરજી ફગાવીને કાયમી જામીન માંગવા માટે અરજી કરવાનો નિર્દેશ આપ્યો હતો. શ્રી તોમરે કહ્યું કે આ એકવીસ પ્રોજેક્ટો દ્વારા રોજગારીની તકો ઊભી થશે, તેમજ લાભ મળશે. બિહાર વિધાનસભાની બસ્સો તેતાલીસ બેઠકોની તથા ગુજરાત સહિત અગિયાર રાજ્યોના વિધાનસભાની અડસઠ બેઠકોની તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીની મતગણતરી આજે સવારના આઠ વાગ્યાથી હાથ ધરાશે. બિહાર વિધાનસભાની બસ્સો તેતાલીસ બેઠકોની તથા ગુજરાત સહિત અગિયાર રાજ્યોના વિધાનસભાની અડસઠ બેઠકોની તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીની મતગણતરી આજે સવારના આઠ વાગ્યાથી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે ગત જૂન માસમાં ફિલ્મ અભિનેતા સુશાંતસિંહના મૃત્યુ બાદ બોલિવૂડ અને કેફી પદાર્થ વેચનાર વચ્ચે કહેવાતી સાંઠ-ગાંઠ બાબતે તપાસ કરી રહી છે. ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચુંટણી માટે મતોની ગણતરી આજે સવારે આઠ વાગ્યાથી શરૂ થશે. કેયા નાયડુએ શિયાળુસત્રને સુપેરે ચલાવવા માટે ગૃહના બધા જ પક્ષોના નેતાઓને આગ્રહ કર્યો છે. અત્રે જણાવીએ કે તેઓ પ્રથમ વખત કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આગામી ઓગણત્રીસ મી ડિસેમ્બરના કચ્છ આવે તેવી સંભાવનાઓ છે. શ્રી નાયડુએ સત્ર સુચારૂ અને સરળ રીતે ચાલે તે માટે સૂચનો અને સહકાર આપવાનો અનુરોધ કર્યો હતો. લખપત મુન્દ્રા ગાંધીધામ અને રાપર તાલુકામાં છુટાછવાયા ઝરમર વરસાદી ઝાપટા પડતા માર્ગો ભીના થયા હતા. જો કે ગઈ રાત સુધી પણ ભેજ સાથે વાદળિયાં માહોલ શુષ્કતા સર્જી હતી, તેમજ સાંજે છ અને વીસ મિનિટથી છ અને ત્રીસ મિનિટ દરમિયાન સિંધી સમાચાર દિલ્હી થી પ્રસારિત થશે. આ સમાચારોના સમયના ફેરફારને લીધે સાંજે સ્થાનિક સમાચાર નો સમય છ અને ત્રીસ મિનિટથી છ અને પાંત્રીસ મિનિટનો રહેશે. મંત્રી સહિત ત્રીસ નેતાઓએ આ બેઠકમાં હાજરી આપી હતી. શ્રી નાયડુએ ઉપલા હની સરળ કાર્યવાહી માટે નવી દીલ્હી ખાતે નેતાઓ સાથે બેઠક યોજી હતી. કલ્પના શાહ પાંચ રાજ્યોની મતગણતરી પરિણામ મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા, અને મિઝોરમ વિધાનસભા ચૂંટણીની મતગણતરી આજ સવારે આઠ વાગ્યાથી શરૂ થશે, અને બપોર સુધીમાં પરિણામ સ્પષ્ટ થઈ જશે. બપોરે બે અને ત્રીસ મિનિટ થી ત્રણ વાગ્યા દરમિયાન ત્રણ વાગ્યાથી ત્રણ ને પાંચ મિનિટ દરમિયાન પ્રાદેશિક સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત થશે.